સુરત ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છેલ્લા ત્રણ દિવસ માટે ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આજ રોજ મોસ્ટ આયર્ન રોડસ ઇન વન મિનિટ અને મોસ્ટ લેયર્ડ ઓફ નેલ્સ સેન્ડવીચ ની ઇવેન્ટ યોજાઈ હતી બંને ઇવેન્ટ માં ખાસ વિસપી ખરાડીએ બે અનોખા વર્લ્ડ રેકોર્ડ કર્યા હતા. જેમાં રશિયાએ અગાઉ મોસ્ટ આયર્ન રોડસ લેન્ડ ઇન વન મિનિટ નો રેકોર્ડ કર્યો હતો, તે સુરતના વિસપી ખરાડી અને તેની ટીમે તોડી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું હતું. આ સિવાય મોસ્ટ લેયર્ડ ઓફ લેન્સ સેન્ડવીચ નો અગાઉ આઠ લેયર્ડ નો પોતે કરેલ રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો સુરત ના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છેલ્લા ત્રણ દિવસ ઇન્ટરનેશનલ કુડો ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. આજ રોજ બીજા દિવસે આ ટુર્નામેન્ટ ની ઇવેન્ટ માં બે અનોખા વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં સુરત ના વિસપી ખરાડી અને તેની ટીમને આ સમગ્ર ફાળો જાય છે. ઇન્દોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ પ્રથમ મોસ્ટ લેયર્ડ ઓફ સેન્ડવીચ ઇવેન્ટ માં કુલ આઠ લેયર્ડ ખીલા પર બનાવવામાં આવ્યા હતા. જે દસ સેકન્ડ સુધી એકધારું સ્ટેન્ડ બાય રાખવાનું હતું. જે વિસપી ખરાડી અને તેની ટીમે દસ સેકન્ડ થી પણ વધુ સમય સુધી એકધારું આ લેયર્ડ અડીખમ રીતે પોતાના શરીર પર ઉભું રાખી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.